પંજાબના 'ખન્ના' નામના શહેરમાં મેડિકલ સ્ટોર ચલાવનાર રમેશચંદ્ર શર્મા.તેમણે તેમના જીવનમાં એક પૃષ્ઠ ખોલી નાખ્યું, જે આવા બિઝનેસ સાથે જોડાયેલા વાચકોની આંખો ખોલી શકે છે. રમેશજી કહે છે કે મારો મેડિકલ સ્ટોર ખૂબ જ સારી રીતે ચાલતો હતો અને મારી આર્થિક સ્થિતિ પણ કશી ઘણી સારી હતી. મારી કમાણી સાથે મેં જમીન અને કેટલાક પ્લોટ ખરીદ્યા અને મારા તબીબી સ્ટોરની સાથે ક્લિનિકલ પ્રયોગશાળા પણ ખોલી. હું અહીં અસત્ય નહીં બોલું. હું ખૂબ જ લોભી માણસ હતો, કારણ કે તબીબી ક્ષેત્રે ડબલ જ નહીં, ઘણી કમાણી કરી હતી. સંભવત: મોટાભાગના લોકો જાણતા નહીં હોય કે તબીબી વ્યવસાયમાં દસ રૂપિયામાં આવતી દવા સરળતાથી સિત્તેર -એંસી રૂપિયામાં વેચાય છે. પરંતુ કોઈએ મને ક્યારેક બે રૂપિયા પણ ઘટાડવાનું કહ્યું હતું, ત્યારે હું ગ્રાહકને ના પાડતો. વર્ષ માં એક વૃદ્ધ માણસ ઉનાળા દરમિયાન મારા સ્ટોર પર આવ્યો. તેણે મને ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન આપી. મેં દવા વાંચી અને બહાર કાઢી તે ડ્રગ બિલ પાનસો સાઠ રૂપિયા થઈ ગયું. પણ વૃદ્ધ માણસ વિચારતો હતો. તેણે તેના બધાં ખિસ્સાં ખાલી કર્યાં, પરંતુ તેની પાસે કુલ એકસો એંસી રૂપિયા હતા. હું તે સમયે ખૂબ જ ગુસ્સે હતો, કારણ કે મારે તે વૃદ્ધ વ્યક્તિની દવા લેવા માટે ઘણો સમય લેવો પડ્યો હતો અને તેની પાસે પૈસા પણ નહોતા. વૃદ્ધ માણસ દવા લેવાનો ઇનકાર પણ કરી શક્યો નહીં. કદાચ તેને દવાઓની તીવ્ર જરૂર હતી. ત્યારે વૃદ્ધે કહ્યું, "મદદ કરો. મારી પાસે પૈસા ઓછા છે અને મારી પત્ની બીમાર છે. અમારાં બાળકો પણ અમને પૂછતાં નથી. હું વૃદ્ધાવસ્થામાં મારી પત્નીને મરતો જોઈ શકતો નથી. " પરંતુ મેં તે સમયે તે વૃદ્ધની વાત સાંભળી નહીં અને તેને દવા પાછી મૂકવાનું કહ્યું. અહીં હું એક વાત કહેવા માંગુ છું કે હકીકતમાં તે વૃદ્ધ વ્યક્તિ માટેની દવાઓની કુલ રકમ એકસો વીસ રૂપિયા હટી. મેં તેમાંથી એકસો પચાસ રૂપિયા લીધા હોત તો પણ મને ત્રીસ રૂપિયાનો નફો થયો હોત. પણ મારા લોભે તે વૃદ્ધ લાચાર વ્યક્તિને પણ મેં છોડ્યો નહીં. ત્યારે મારી દુકાન પર આવેલા બીજા ગ્રાહકે તેના ખિસ્સામાંથી પૈસા કાઢયા અને તે વૃદ્ધની દવા ખરીદી. પરંતુ તેની પણ મારા પર કોઈ અસર નહોતી. મેં પૈસા લીધા અને વૃદ્ધને દવા આપી. સમય જાય છે. વર્ષ આવી ગયું છે. મારા એકમાત્ર પુત્રને મગજની ગાંઠ છે. પહેલાં તો અમને ખબર નહોતી, પરંતુ જ્યારે તેનો ખ્યાલ આવ્યો ત્યારે પુત્ર મૃત્યુની ધાર પર હતો. પૈસા વહેલા રહ્યા અને છોકરાની માંદગી વધુ વકરી. પ્લોટ વેચાયા હતા, જમીન વેચી હતી અને અંતે મેડિકલ